આ સંપત્તિમાં મેહેરબાઈના આભૂષણો અને જબુલી હીરાનો પણ સમાવેશ થતો હતો. સમય જતાં ટાટા સ્ટીલ ફરીથી સમૃદ્ધ થવા લાગી. જોકે, ઓગણીસો એકત્રીસમાં મેહેરબાઈ ટાટાનું નિધન થયું. તેના બીજા જ વર્ષે દોરાબજી ટાટાનું પણ નિધન થયું. દોરાબજી ટાટાએ પોતાની વસીતીમાં પોતાની સંપત્તિ દોરાબજી ટાટા ચેરિટેબલ ટ્રસ્ટને સોંપી હતી, જેમાં જબૂલી હીરાનો પણ સમાવેશ થતો હતો. વર્ષ ઓગણીસો આડત્રીસમાં જબુલી હીરો કાર્ટિયર મારફતે વેચવામાં આવ્યો અને તેમાંથી મળેલી રકમ ટ્રસ્ટને સોંપવામાં આવી. ચંદ્રયાન-લોન્ચ અન થ્રી લોન્ચ: ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઈ શકો? ચંદ્રયાન-થ્રીનું લોન્ચિંગ ચૌદ જુલાઈ, શુક્રવારે બપોરે બે વાગીને પાંત્રીસ મિનિટે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી કરવામાં આવવાનું હતું. આ અદભૂત નજારો જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ હતો. ચંદ્રયાન-થ્રીના લોન્ચિંગનું કાઉન્ટિગ ડાઉન થયૂ હતું અને સમગ્ર વિશ્વની નજર આ મિશન પર કેન્દ્રિત હતી. ચંદ્રયાન-થ્રીને ભારત સૌથી ભરોસાપાત્ર રોકોડમાંથી એક દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. આ જ રોકેટ દ્વારા અગાઉ ચંદ્રયાન-ટૂ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-ટૂ મિશન લગભગ ચાર વર્ષ પહેલાં લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ ટેક્નિકલ ખામીને કારણે તે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરી શક્યું નહોતું. ચંદ્રયાન-થ્રી માટે આ અનુભવને ધ્યાનમાં રાખીને દરેક પાસાનો નજીકથી અભ્યાસ કરવામાં આવ્યો હતો. શું છે ચંદ્રયાન-થ્રી મિશન? ચંદ્રયાન-થ્રી થ્રી મિશન હેઠળ ઈસરોનો હેતુ ચંદ્રની દ્રષક્ષિણ સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરીને તેનો અભ્યાસ કરવાનો હતો. ચંદ્રયાન-થ્રી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે ઉતરવાનું હતું. જો ભારત આ વિસ્તારમાં સફળતાપૂર્વક પહોંચે, તો તે આવું કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની શકે તેમ હતું. ચંદ્ર વિશે એવું માનવામાં આવે છે કે તેની રચના પૃથ્વીના પ્રારંભિક ઇતિહાસ સાથે જોડાયેલી છે. ચંદ્રના અભ્યાસથી પૃથ્વીના પ્રારંભિક ઇતિહાસ વિશે પણ મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે. ચંદ્રયાન-થ્રીનું લોન્ચિંગ કેવી રીતે જોઈ શકશો? દરેક વ્યક્તિ ચંદ્રયાન-થ્રીના લોન્ચિંગનું સાક્ષી બનવા માંગતી હતી અને આ ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરવા માંગતી હતી. ઈસરોએ આ માટે ખાસ વ્યવસ્થા કરી હતી. ઈસરોની સત્તાવાર વેબસાઈટ પર આવેલી લોન્ચ વ્યૂ ગેલેરીમાં લોકો પોતાની સીટ બુક કરી શકતા હતા. ઈસરોના વડા એસ. સોમનાથે જણાવ્યું હતું કે ચંદ્રયાન-થ્રીનું લોન્ચિંગ જોવા માટે લોકો ઈસરોની વેબસાઈટ પર જઈને પોતાની સીટ બુક કરી શકે છે. આ ઉપરાંત, ઈસરોની વેબસાઈટ અને યુટ્યુબ ચેનલ પર લોન્ચિંગનું લાઈવ ટેલિકાસ્ટ પણ જોઈ શકાય તેમ હતું.